જો મેં તમને કહ્યું હોય કે મેં ભવિષ્ય જોયું છે? તમને મારા હાથ ગમે છે? તેઓ અર્થસભર છે, હા? હવે તમારા હાથ જુઓ હવે આગળ વધો. તેમના સ્પર્શ દ્વારા ઇતિહાસ રેકોર્ડ છે અને તેમની હથેળી પર ભાવિના નિશાન બનાવ્યાં. ક્યારેક હાથની પકડ ચુસ્ત, ક્યારેક હાથ જવા દો. જો હું તમને કહું તો શું તે બધું પૂર્વવત્ થવાનું છે? હમ્. મહિલાઓ અને સજ્જનો અને અન્યથા વર્ણવેલ, હું જોમામા જોન્સ છું. કેટલાક મને આત્મિય ધ્વનિનો સુપરસ્ટાર કહે છે, અને હું સંમત છું, જોકે મારા ભૂતકાળમાં પણ તે ભવિષ્યનો હતો. ચાલો હું તને પાછા બાળપણમાં લઈ જઈશ. આ ચિત્ર: તે વાવેતર દિવસ હતો, જે રજા ની મેં શોધ કરી બ્લેક યુવા સમુદાય જૂથ માટે જેની મેં સ્થાપના કરી. હું મારા બાગકામના નમૂનાને મૂકવા માટે ઘેરે રે ગયો જ્યારે મેં મારા કાકા ફ્રીમેનને રંગે હાથ પકડ્યા. તે મારા પિગી બેંક ઉપર તેના હથોડા સાથે ઉભા હતા. તે મારા સિક્કા ચોરી કરી રહ્યા હતા. અને તમે જુઓ, મારા કાકા ફ્રીમેન એક હેન્ડીમેન હતા. તે કંઈપણ ઠીક કરી શકે છે તૂટેલી ખુરશી, એક વિખેરાયેલો પોટ પણ દાદીના છોડને જીવનમાં પાછા લાવવો. તેને તૂટેલી વસ્તુઓ સાથેનો જાદુઈ સ્પર્શ હતો... અને તૂટેલા લોકો. તે મને તેની નોકરી પર તેની સાથે લઈ જતા અને કહે , ચાલ, ચાલો આપણે આ વિશ્વને શ્રેષ્ઠ સ્થાન બનાવવા માટે કંઈક કરીએ. " તેના હાથ પહોળા હતા, અને તેઓ હંમેશાં મને વિસ્થાપિત ઝાડના મૂળની યાદ અપાવે છે. જેમ આપણે કામ કર્યું હતું તે લોકો સાથે વાત કરશે પરિવર્તન વિશે તેને ખાતરી હતી કે તે ખૂણાની આસપાસ જ છે. મેં તેને ધ્વજવંદીની આશાઓ સુધારતી જોઇ અને લોકોને છોડી દો તેમના માથા ઊંચા રાખવા સાથે. તેના હાથથી સૂર્યપ્રકાશ જગાડ્યો. અને હવે તે મારી પિગી બેંક તોડવા જઇ રહ્યા હતા. મેં કહ્યું, "પાછળ ખસો, અને મને તમારા હાથ બતાવો. " તમે જાણો છો કે વક્રોક્તિ હતી તે કામ કરતી વખતે ફ્લોરબોર્ડ્સ હેઠળ મળેલા બધા જૂના સિક્કાઓ આપતા અને મેં તેમને પિગી બેંકમાં મૂક્યા મારા નાણાં માં અન્ય કર્યો દ્વારા મેં કમાયેલા પૈસા સાથે. પરંતુ વસંત સુધીમાં કાકા ફ્રીમેનનો સ્પર્શ ખોવાઈ ગયો હતો... તેની મોટાભાગની નોકરીઓ સાથે. તેમને ભારે ભવિષ્ય જોયું તેના હથેળીમાં ખોટા નાગરિક અને બ્લેક પાવર આઉટેજિસ. છેલ્લો સ્ટ્રો ગયા શિયાળામાં આવ્યો હતો જ્યારે તેઓએ ફ્રેડ હેમ્પટનને ઠાર માર્યો હતો. ડરથી ભરાઈ ગયાં અને ગુસ્સો અને ઉદાસી, કાકા ફ્રીમેને તેના ભવિષ્યની રમત રમવાનો પ્રયાસ કર્યો. તેણે ખૂબ હેરાન કર્યું, અને તેણે નંબર